જુલ્લુ કહે કે અવકાશમાં ઘર્ષણનું બળ નથી લાગતું એટલે ગ્રહો સતત ગતિમાન રહે છે. જુલ્લુ મોનુને કહે કે જો ધાતુના બે ટુકડાઓ અવકાશમાં એક બીજાને અથડાય તો બંને એકમેકમાં ભળી જાય અને એક જ ટુકડો બની જાય. પ્રવાહી અવકાશમાં તરી ન શકે પણ એના નાના નાના ગોળા બની જાય. જુલ્લુ મોનુને કહે કે અવકાશયાત્રી અવકાશની સફરે હોય ત્યારે કોઈ પ્રવાહી ગળી ન શકે કારણકે અવકાશમાં ગુરુત્વાકર્ષણ અત્યંત ઓછું હોય છે. મોનુએ જોરથી ચીસ પાડી તો જુલ્લુ કહે કે અવકાશમાં તારી ચીસ નહીં સંભળાય કારણકે અવકાશમાં અવાજના મોજાંનું વહન કરી શકે એવી હવા જ નથી હોતી. ચન્દ્ર ઉપર પવન જ નથી હોતો આથી જે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ગયા છે એમના પગલાંની છાપ હંમેશ માટે રહેશે. મોનુને ઈચ્છા થઇ આવી કે એનો પોપટ પણ અવકાશમાં આવ્યો હોત તો કેવી મજા આવેત? તો જુલ્લુ કહે કે અવકાશમાં પક્ષીઓ ન રહી શકે કારણકે પક્ષીઓને કોઈ પણ ખોરાક ગળવા માટે ગુરુત્વાકર્ષણ જોઈએ જે અવકાશમાં ન હોય. અવકાશમાંના કિરણોત્સર્ગને લીધે અવકાશમાં આંખો આંજી નાંખે એવા ઝબકારા દેખાય છે. જુલ્લુ મોનુને કહે કે અપોલોયાનના અવકાશયાત્રીઓએ એકવાર એક અદભુત નજારો માણ્યો હતો. અવકાશના કાળા અંધકારમાં આપણી પૃથ્વી ભૂરા રંગની તેજસ્વી રકાબી જેવી દેખાઈ હતી! એ અગાઉ અમેરિકાનું સ્કાયલેબ નામનું અવકાશમથક તૂટી પડ્યું હતું. અવકાશયાન સાથે કોઈ અવકાશી પદાર્થ અથડાઈ જાય તો એનું રક્ષણ કરવા માટે એને બે આવરણ હોય છે. અવકાશયાનો કાર્ય કરતાં બંધ થઇ જાય પછી પણ ભંગાર બનીને ભ્રમણ કરતાં જ રહે છે.